તેઓ તેમને આપવા જઈ રહ્યા છે કલ્પના અને સહનશક્તિ અને બહાદુરી જ્યારે વાવાઝોડા આવે છે. કોઈપણ જે તમને કહેવાનો પ્રયાસ કરે છે કે તેઓ ભવિષ્યને જાણે છે ફક્ત તેમના માલિક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સખત ઊંડૂ સત્ય છે કે ભવિષ્ય અવિચારી છે. જ્યાં સુધી આપણે ત્યાં ન પહોંચીએ, ત્યાં સુધી આપણે તેનો નકશો બનાવી શકતા નથી. પરંતુ તે બરાબર છે કારણ કે આપણી પાસે આટલી કલ્પના છે જો આપણે તેનો ઉપયોગ કરીશું. આપણી પાસે ઉંડી પ્રતિભા છે શોધ અને સંશોધન જો આપણે તેમને લાગુ પાડીએ. આપણે પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી વસ્તુઓની શોધ માટે આપણે એટલા બહાદુર છીએ. તે કુશળતા ગુમાવો અને આપણે અડગ છીએ પરંતુ તેમને સન્માનિત કરો અને વિકાસ કરો. આપણે પસંદ કરેલા ભવિષ્યને બનાવી શકીએ છીએ. મેં શહેરમાં પોલીસ અધિકારી તરીકે સેવા આપી આશરે ટ્વેન્ટી ફાઈવ વર્ષ થયા. ખરેખર આ થોડું રમુજી લાગે ને? થોડા વર્ષ પેહલા મેં આશ્ચર્યજનક વસ્તુ નોંધ કરી કે સપ્ટેમ્બરની શરૂઆતમાં મેં ભરતીનું નિરીક્ષણ શરુ કર્યું જે પોલીસ દ્વારા ન્યૂ જર્સી રાજ્યમાં કરાઈ રહી હતી અને મને જાણવા મળ્યું કે સ્ત્રીઓ સિક્સટી ફાઈવ થી એઈટી ટકાના દરે નિષ્ફળ રહી હતી શારીરિક પરીક્ષાના વિવિધ પાસા ને કારણે. મેં નીતિમાં બદલાવ જોયો. હવે શારીરિક કસોટી ઉમેદવારે પાસ કરવી ફરજીયાત હતી ટેન નાના કસરત સત્રની અંદર. સ્ત્રીઓ પર તેની સૌથી વધુ અસર પડી. પરિવર્તનનો અર્થ એ હતો કે પાંચ મહિનાની લાંબી એકેડેમીમાંથી લગભગ ત્રણ અઠવાડિયામાં ભરતી થાય છે શારીરિક પરીક્ષા પાસ કરવા માટે. જોકે આનો કોઈ અર્થ નથી. પોલીસ એજન્સીઓ અને પોલીસ ભરતી કરનારે ભારે રોકાણ કર્યું હતું એકેડેમીમાં તે ભરતીઓ મેળવવા. પોલીસ ભરતીમાં ભૂતકાળની કડક તાપસ થતી, તેમને શારીરિક તથા માનસિક કસોટી પણ પાસ કરવી પડતી. તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી. ઘણાએ ડોલરથી વધારે ફી તથા સાધનની ખરીદીમાં ખર્ચો કર્યો. માત્ર પહેલા ત્રણ અઠવાડિયામાં બહાર નીકળવા? ન્યુ જર્સીની વિકટ પરિસ્થિતિમાં મહિલાઓની પોલીસમાં પરિસ્થિતિ શું છે તે તપાસવા મને દોરી આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં. મને લાગે છે થર્ટીન ટકાથી ઓછી મહિલાઓ પોલીસ બની શકે છે. આ આંકડો છેલ્લા ટ્વેન્ટી વર્ષમાં બદલાયો નથી. અને માં માત્ર થ્રી ટકા જ ઊંચી કક્ષાના પોલીસ અધિકારી બન્યા છેલ્લી વખત જયારે માહિતી મેળવેલ હતી. આપણે ખબર છે કે તેને આપણે બદલી શકીયે છીએ.